પણ વાંચો બેડરૂમની દિવાલો માટે બેસ્ટ બ્લુ બે કલર કોમ્બિનનિકીશન બેડરૂમની દિવાલો માટે પીળો અને ક્રીમ કલર કોમ્બિનનિકીશન. ક્રીમ અને પીળા રંગના સંયોજન સાથેનો ઓછામાં ઓછો બેડરૂમ, આશા અને સકારાત્મકતાથી ભરેલો રંગ.પીળો, સૂર્યનો રંગ, બેડરૂમની દિવાલો પર સારો લાગે છે. તેમાં ક્રીમનો ટોન ઉમેરો, અને તમારી પાસે એક બેડરૂમ છે જે ખુશખુશાલ, જુવાન મૂડ ફેલાવે છે. તટસ્થ અને શાંત, ક્રીમ એક એવો સ્વર છે જે માત્ર પીળા રંગ સાથેદૃષ્ટિની રીતે મેળ ખાતો નથી પણ તે તેની આસપાસના વિસ્તારમાં જે વિસ્તરે છે તેની સાથે પણ ગોઠવે છે. તમારા રૂમમાં થોડો ન્યૂનતમ અને વ્યક્તિગત સરંજામ ઉમેરો અને આરામ અને સંબંધિત જગ્યા બનાવો. બેડરૂમ માટે મિન્ટ ગ્રીન એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન. મિન્ટ લીલી અને સફેદ બેડરૂમની દિવાલો ન્યૂનતમ સરંજામ અને મની ટ્રી સાથે. જો તમે એવા વ્યક્તિ છો કે જેમને કામ પર વારંવાર તણાવપૂર્ણ દિવસો હોય છે, તો બેડરૂમની દિવાલો માટે ટંકશાળના લીલા અને સફેદ રંગના મિશ્રણને પસંદ કરો. ટંકશાળનો લીલો અથવા મ્યૂટ લીલો છાંયો તેની આસપાસના વાતાવરણ પર શાંત અસર કરે છે. લીલોતરીનો શાંત છાંયો તમને તાજગી અનુભવવાની શક્તિ ધરાવે છે. તેને મ્યૂટ સફેદ સાથે જોડો જે શાંતિ અને સુલેહ-શાંતિ માટે વપરાય છે અને તમારી પાસે એક ઓરડો છે જે શાંત અને આરામ આપે છે અને તમને રાત્રે સારી રીતે આરામ કરવામાં મદદ કરે છે. શ્રેષ્ઠ ઘર આંતરિક રંગ સંયોજન અને રંગ ડિઝાઇન વિચારો. પ્રેરણા માટે છબીઓ સાથે તમારા ઘર માટે પડદાના રંગ સંયોજનના વિચારો. તમારા ઘર માટે ગુલાબી રંગના આંતરિક ડિઝાઇનના વિચારો.તમારા ઘરના વિવિધ રૂમ માટે ઉષ્ણકટિબંધીય રંગના વિચારો. બેડરૂમ માટે નવીનતમ ડિઝાઇન્સએક ઉત્કૃષ્ટ દેખાવ માટે ડિઝાઇન્સ, તમારા ઘર માટે સરળ સ્વતંત્રતા દિવસની સજાવટના વિચારો. તમારા ઘરમાં એક્વા કલરનો ઉપયોગ કરી શકાય તેવી રીતોએક્વા કલર કોમ્બિનેશન, બેડરૂમની દિવાલો માટે રોયલ ટેક્સચર પેઇન્ટ ડિઝાઇન,બ્લેક અને બ્રાઉન બેડરૂમ દિવાલો, બેડરૂમની દિવાલો માટે બ્લેક અને બ્રાઉન કલર કોમ્બિનનિકીશન. સાદા બેડરૂમની દિવાલોમાં થોડી ઊંડાઈ ઉમેરવા માંગો છો? તમારા રૂમમાં મજબૂત છતાં ભવ્ય પાત્રની જરૂર છે? કાળો તમારો જવાબ છે. જ્યારે તમે બેડરૂમની દિવાલો પર કાળા રંગનો ઉપયોગ કરો છો, ત્યારે રહસ્યની સૌંદર્યલક્ષી રચના થાય છે. કાળો કાલાતીત છે. તેને ઉપરની છબીની જેમ બ્રાઉન શેડ સાથે પેર કરો અને સોફ્ટ-ટોન લાઇટ્સની થોડી મદદ વડે સ્ટાઇલિશ સ્પેસ બનાવો. તમારા રૂમમાં અક્ષર ઉમેરવા માટે ભૂરા રંગનો ઉપયોગ કરો. ધાતુના કાળાથી વિપરીત, એક ધરતીનો ભૂરો તમારી જગ્યાની સુંદરતામાં ઉમેરો કરશે. બેડરૂમ દિવાલો માટે